ગિટાર અથવા પિયાનો જેવા સંગીતનાં સાધનો આદર્શ છે. તેઓ માત્ર જગ્યાની એકંદર સુંદરતા અને સૌંદર્ય શાસ્ત્રમાં વધારો કરતા નથી, પરંતુ ઘરની સર્જનાત્મક શક્તિઓને પણ ઉમેરે છે. ચિત્રો સાથે જીવન ઉમેરો. હાઉસ નંબર અંકશાસ્ત્ર અમને જણાવે છે કે સજાવટ તરીકે પેઇન્ટિંગ્સ રાખવા એ સરસ વિચાર છે. તમારી જગ્યામાં સર્જનાત્મક પાસાને જીવનમાં લાવવા માટે ચિત્રો બીજી રીત છે. પેઇન્ટિંગ્સથી સજાવટ કરો જે તમારા અને તમારા વ્યક્તિગત સ્વાદ સાથે પડઘો પાડે છે. પરંતુ, તે પેઇન્ટિંગ્સ પર તમે જે રંગો પસંદ કરવાનું પસંદ કરો છો તેનું ધ્યાન રાખો. પીળો તમારી જગ્યામાં ખુશખુશાલ, ખુશનુમા વાતાવરણ લાવશે, ગુલાબી રંગ વધુ પ્રેમ ઉમેરશે, અને લીલો રંગ ઉપચાર તેમજ સારા નસીબ લાવશે. મિશ્રણમાં કેટલાક છોડ ઉમેરો. ઉત્તરમાં છોડ ઘર નંબર અંકશાસ્ત્રમાં કારકિર્દીની પ્રગતિ લાવે છે. ઘર નંબર અંકશાસ્ત્ર ઉત્તર ચતુર્થાંશમાં લીલો ખૂણો રાખવાની સલાહ આપે છે. અહીં કેટલાક ઇન્ડોર પ્લાન્ટ્સ રાખો અને તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ જોશો. ઉપરાંત, ખાતરી કરો કે તમે ઘરના દક્ષિણ-પૂર્વ ભાગને હંમેશા સ્વચ્છ અને અવ્યવસ્થિતથી મુક્ત રાખો. સુથિંગ કોર્નર રાખો. ઘર નંબર અંકશાસ્ત્રના વાઇબ સાથે મેળ ખાતી આરામદાયક જગ્યા. ઘરમાં એક નાનો હૂંફાળું નૂક બનાવો. ઉપરની છબીની જેમ બુકકેસ પાસે એક સરસ, આરામદાયક ખુરશી ઉમેરો, થોડા છોડ વડે સજાવો અને તમારી પાસે તમારા ઘરના વાતાવરણને અનુરૂપ કંઈક છે. હાઉસ નંબર ન્યુમેરોલોજી. એક અલગ ઓફિસ. દિવાલ પર લીલા રંગ સાથે અલગ ઓફિસ સ્પેસ, ઘર નંબરના અંકશાસ્ત્ર મુજબ નંબર માટે સારા વિચારો જો તમે હોમ ઓફિસ રાખવાની યોજના ઘડી રહ્યા છો, તો ઘર નંબર અંકશાસ્ત્ર અનુસાર, અહીં કામ માટે અલગ, સમર્પિત જગ્યા રાખો. ઓફિસની દિવાલોને લીલો રંગ આપો, અથવા તમે કામ પર હકારાત્મક અસર કરવા માટે વાદળી અથવા લીલાક દિવાલો પસંદ કરી શકો છો. ઘર નંબર અંકશાસ્ત્ર. ઊર્જા સંતુલિત કરવા માટેની ટિપ્સ. ઘર નંબરના અંકશાસ્ત્ર અનુસાર નંબર છની પ્રેમાળ, કૌટુંબિક લક્ષી શક્તિઓમાં સરકી જવું સરળ અને સહેલું છે. તેથી સંતુલન બનાવવાની અને શક્તિઓને એવી રીતે સંચાલિત કરવાની સલાહ આપવામાં આવે છે કે તેઓ એકંદરે ફળદાયી અસર કરે. અહીં કેટલીક ટીપ્સ છે જે મદદ કરશે. ઘર નંબર અંકશાસ્ત્રમાં જુસ્સા દ્વારા શાસન કરે છે અને તમે જે કરો છો તેના વિશે જુસ્સાદાર લોકોને ફાયદો થશે. જો કે, તે મહત્વપૂર્ણ છે કે તમે શક્તિઓને યોગ્ય દિશામાં દિશામાન કરો. જ્યારે ઘર નંબર છમાં રહેતી હોય ત્યારે નાણાકીય સમસ્યાઓનો શિકાર થવું ખૂબ સરળ છે. અને, કારણ કે ઘર ભાવનાત્મક સ્વાસ્થ્ય અને સુખાકારી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, તમારી નાણાકીય સ્થિરતા ઉછાળી શકે છે. તેથી, ધ્યાન રાખો, ઘર નંબર અંકશાસ્ત્ર